ચીફ સામે અનેક કેસ હોવાનું જણાવતા સિબ્બલે આ બાબતની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની માંગણી કરી હતી. "મારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જોઈએ છે. આ એફઆઈઆરનો અર્થ શું છે, માત્ર સ્થાનિક પોલીસ? તેણે કીધુ. જ્યારે મહેતાએ સુપ્રીમ કોર્ટને આ મુદ્દો દિલ્હી પોલીસ વડા પર છોડી દેવા વિનંતી કરી ત્યારે સિબ્બલે કહ્યું કે આ મામલાની દેખરેખ નિવૃત્ત જજ દ્વારા થવી જોઈએ. મહેતાને કોર્ટને ઘટનાક્રમની જાણ કરવા કહેતાં એ કહ્યું કે બેંચ "તપાસનું નિરીક્ષણ કરશે નહીં અથવા તપાસને ચેનલલાઈઝ કરશે નહીં". તેમણે એમ પણ કહ્યું કે આ મામલાનો તાત્કાલિક નિકાલ કરવાને બદલે બેન્ચ તેને આવતા અઠવાડિયે ફરીથી હાથ ધરશે. મહેતાએ ચિંતા વ્યક્ત કરી હતી કે સમગ્ર મામલાને "અન્ય દિશામાં" લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે. મહેતાએ બેન્ચને કહ્યું કે "ત્યારબાદ દરેક કેસમાં, એક અપવાદરૂપ કેસ બનાવવામાં આવશે કે જે નિવૃત્ત ન્યાયાધીશ મોનીટર કરી શકે છે. એફઆઈઆર નોંધાયેલ છે. પોતાનો માર્ગ અપનાવશે," જવાબ આપતા સિબ્બલે સિંઘ સામે કુસ્તીબાજોની ફરિયાદોની તપાસ કરવા માટે જાન્યુઆરીમાં રમતગમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી પાંચ-સદસ્યની દેખરેખ સમિતિનો ઉલ્લેખ કર્યો હતો, જેનો અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે "તેના અહેવાલ પર હસ્તાક્ષર કરવાની અને જોવાની મંજૂરી નથી આ દરમિયાન, મંત્રાલય કંઈ કરતું નથી. અમે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ફરિયાદ કરી હતી. તેઓ કંઈ કરતા નથી. કાયદો કહે છે કે જે ક્ષણે એમ્પ્લોયરને જાણ થાય છે અથવા ફેડરેશનને ખબર પડે છે કે આવું કંઈક થયું છે, તેમણે એફઆઈઆર દાખલ કરવી જોઈએ, અમે નહીં.